તેથી આગલી વખતે તમે કોઈ સ્ટોર પર જાઓ અને શેમ્પૂની બોટલ ઉપાડો, જુઓ કે બોટલ સલામત અને ટકાઉ રિસાયકલ પ્લાસ્ટિક છે કે નહીં. તે ફક્ત પૃથ્વીની સહાય કરવા જ નહીં પણ તેના મહત્વપૂર્ણ કામ માટે શેરીના ખૂણાના રિસાયકલને પણ પુરસ્કાર આપે છે. હવે તે બ્રાન્ડ્સને તેમના મુખ્ય પ્રવાહના ઉત્પાદનો અને કાર્યક્રમો માટે વધુને વધુ રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની ફરજ પાડશે. આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ પ્રાચીન જ્ઞાન છે. ચાલો આપણે ધરાવતા એક માત્ર ગ્રહનો નાશ ન કરીએ. અમારું એક માત્ર ઘર છે. આભાર. શાહરૂખ ખાન: આભાર, મણિ. જ્યારે હું નાનો હતો, હું ઉપયોગ કરતો હતો. આપણે કેટલું ઓછું જાણીએ છીએ કે આપણે એક રાષ્ટ્ર તરીકે, પ્લાસ્ટિક અને કચરોનો સૌથી મોટો રિસાયકલ છે, જો ફક્ત પ્લાસ્ટિક જ નહીં અને અમે આપણા પોતાના દેશ વિશે આ જાણતા ન હતા. મણિ વાજપેયી: શું હું કંઈક સરસ કહી શકું? ન્યુ યોર્ક અને પેરિસ જેવા શહેરો આજે રિવર્સ વેન્ડિંગ મશીનો મૂકવાનું વિચારી રહ્યા છે, જેથી લોકો ત્યાં જઈને તેમાં કચરો નાખી શકે અને પછી તેઓને થોડી રોકડ મળી શકે. છેલ્લા ઘણા દાયકાઓથી, સમગ્ર દેશ અને કબાડીવાલાઓ, અને ભાંડીવાલાઓ, આપણે તે કરી રહ્યા છીએ. હું ખૂબ સકારાત્મક છું કે ત્રણથી પાંચ વર્ષમાં, તમે જાગી જશો, તમે જાણો છો કે પ્લાસ્ટિકનું રિસાયકલ કરવામાં આવી રહ્યું છે, તમે પેકેજિંગ પસંદ કરવા જઇ રહ્યા છો, તમે જાણો છો કે પેકેજમાં ખરેખર એક નિશાન છે જે રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે,તેથી હું આ વિશે ખૂબ જ આશાવાદી છું. એક ઉદ્યોગસાહસિક તરીકે પણ. શાહરૂખખાન:જ્યારે હું એક યુવાન જોઉં, તેણે જે કર્યું છે અને તે પ્રાપ્ત કરો,હું ઇચ્છું છું કે તે ભાગ લોકોના કાર્યકાળ માટે પ્રોત્સાહનનું સાધન બને. તો મને કહો, તમે ખૂબ પૈસા કમાઇ રહ્યા છો? મણિ વાજપેયી: પ્લાસ્ટિકના રિસાયક્લિંગ વિશે હવે શું તેજસ્વી છે તે છે જેનો સમય આવી ગયો છે અને તમે ટોચની કેટલીક એફએમસીજી કંપનીઓ સાથે ખરેખર મોટા,કરોડપતિ ડોલર કરાર પર હસ્તાક્ષર કર્યા તે ખૂબ જ ભાગ્યશાળી છે. તેથી આપણે ભારતમાં વળગતા સ્થળ પર છીએ. શાહરૂખખાન: મની, પૈસા, પૈસા, પૈસા કહો. મણિ વાજપેયી: શાહરૂખખાન,આંકડા આપો તે લોકોને પ્રોત્સાહિત કરશે, તે લોભ માટે નથી, તે કોઈપણ કારણોસર નથી. તેમને કહો. તેઓ સારા પૈસા સંભારણું માટે લડવું. પુસ્તકો કોણે વાંચ્યું છે? અમારી સંખ્યા અને આંકડા ઓછા લાગે છે પૃષ્ઠ સામે સંકટ વધ્યું છે. આપણા લોકો મરી ગયા છે અને મારી ગયા છે. ઓહ, ભગવાન. કંઈક બદલાવું જ જોઇએ. કંઈક બદલાવું જ જોઇએ.